"પોલીસ જાણતી હતી કે કાગડામાં જીવતો થવા માટે મેં જ આ બધું કર્યું છે. છેવટે, પોલીસે ભાઈને શોધ્યો નહીં. એક અઠવાડિયા પછી મેં તેને કાકાને સોંપી દીધો. વિચાર્યું હવે શું કરું? ગામમાં પ્રધાનની ચૂંટણી મેં નક્કી કર્યું કે ચૂંટણી લડીશ, શું ખબર મને સરકારી કાગળમાં જીવતો કરી દેવામાં આવે. ચૂંટણીમાં પોસ્ટર છપાવ્યા. ઠેર-ઠેર લગાવ્યા, પરંતુ તેમ છતાં મને કાગળમાં જીવતો કરવામાં આવ્યો નહીં. આ રીતે નાની-મોટી પાંચ-છ ચૂંટણી લડ. મેં એક ધારાસભ્યની મદદ લીધી. તેમની સાથે હું લખનઉમાં વિધાનસભાની અંદર ગયો. ત્યાં મેં મારા નામની પત્રિકાઓ ફેંકી. આશા હતી કે કદાચ હવે મારા પર કાર્યવાહી કરવામાં આવશે, અને હું કાગળ પર જીવતો થઈ જઈશ, પરંતુ તેના પર પણ કોઈ કાર્યવાહી નહીં થઈ નહીં. ફરી એકવાર નિરાશા થાઈ લાગી. તે પછી દેશના વડાપ્રધાન રહેલા વીપી સિંહ લોકસભા ચૂંટણી માટે ઇલાહાબાદથી મેદાનમાં ઉતર્યા. મેં પણ તેમની વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભર્યું, અને ચૂંટણી મેદાનમાં ઉતરી ગયો. આ વખતે આશા હતી કે મારી ચર્ચા થશે અને અધિકારીઓ મને કાગળ પર જીવતો કરી દેશે. તે ચૂંટણીમાં ખર્ચ માટે મારી પાસે જે કંઈ હતું તે બધું વેચાઈ ગયું, પરંતુ કાગળ પર જીવતો થયો નહીં. આખરે, તે દિવસ આવ્યો જ્યારે પહેલીવાર પ્રશાસન પર દબાણ આવ્યું. મારી પત્નીએ વિધવા પેન્શન માટે અરજી કરી. અધિકારીઓ તપાસ કરવા મારા ઘરે આવ્યા. તેમણે કહ્યું પત્નીને કહ્યું, "તમે વિધવા ક્યાં છો? સિંદૂર લગાવો છો, બંગડીઓ પહેરો છો, તમારા પતિ જીવતા છે, તો પછી કયા કારણસર વિધવા પેન્શન?" તેના પર પત્નીએ કહ્યું, "જ્યારે મારા પતિ સરકારી કાગળમાં મરી ચૂક્યા છે, તો હું તો વિધવા જ થઈ ને?" લાલા બિહારી જણાવે છે કે, "હવે કારણ કે પૈસા આપવાની વાત હતી, તો અધિકારીઓએ પહેલીવાર મારી એક-એક વસ્તુની તપાસ કરી. તપાસ કરતા-કરતા એક વર્ષ વીતી ગયું. આઝમગઢ પ્રશાસને પહેલીવાર મને કાગળ પર જીવતો કરી દીધો. મારા ગામની જમીન, જે મારા કાકાના દીકરાઓના નામે હતી, તે પણ મારા નામે કરાવી દીધી. આ રીતે પોતાને જીવતો સાબિત કરાવોનો પ્રયાસ કરતા મને અઢાર વર્ષ લાગી ગયા." વાત અહીં જ પૂરી કરીને લાલ બિહારી શોકમાં સામેલ થવા નીકળી જાય છે. જતા-જતા કહે છે, "ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં મારા જેવા ડઝનબંધ કેસ છે. એક મામલો તો જહાજગંજ ગામના ભુજહીંમાં સંફાજી દેવીનો છે." લાલ બિહારી, જેમને લોકો 'મૃતક બિહારી' કહે છે, તેઓ આ રીતે જાણી જોઈને મૃત જાહેર કરાયેલા લોકોની લડાઈ લડી રહ્યા છે. તેઓ 'મૃતક સંઘ' નામની